સવાર છ થી અત્યાર સુધીમાં ક્યાં કેવો વરસાદ નોંધાયો? સવારથી જ મેઘરાજા મનમુકીને બેટીંગ કરી રહ્યા છે. આ અંતર્ગત સવારથી અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જામનગરમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં ત્રણ પોઈંટ પચાસ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય મહેસાણા, અમદાવાદ, સુરતમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય ગીર સોમનાથ, સાબરકાંઠા, રાજકોટ, બનાસકાંઠા, સુરેનદ્રનગર, ગીર સોમનાથ, પાટણ, કચ્છ, જામનગર, ભરૂચના કેટલાક તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જોઈએ આજથી આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપી છે. ક્યા કયા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું? હવામાન વિભાગે ગીર સોમનાથ, જુનાગઢ અને દિવમાં રેડ એલર્ટ આપ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી સહિત સૌરાષ્ટ્ર- કચ્છ એટલે કે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ તો મધ્યમ વરસાદની સંભાવના છે. શનિવારથી રવિવાર સવાર સુધી સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો સુરત, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી, જામનગર અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રવિવારથી સોમવાર સવાર સુધી રવિવારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે. પાટણ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિભારે તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા તથા જામનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારથી મંગળવાર સવાર સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. ક્યાં ભારે, ક્યાં અતિભારે અને ક્યાં અતિથી અતિભારે વરસાદ પડી શકે છે? મંગળવારથી બુધવાર સવાર સુધી મંગળવારે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં મેઘરાજા મેઘ મહેર કરી શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદની સંભાવના છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ઉત્તર પ્રદેશમાં જિલ્લા લેવલે પણ ફેરફાર કરવા જઈ રહી છે. રાજ્યમાં એંસી ટકા જેટલા નવા જિલ્લા પ્રમુખ બનાવવામાં આવશે. લોકસભા ચૂંટણી – ભાજપ ઉત્તર પ્રદેશમાં જિલ્લા પ્રમુખોમાં ફેરફાર કરશે. લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ ગતિએ શરૂ કરી દીધી છે.